અર્ચનાના પરિવારની હાલત એટલી ખરાબ હતી કે ક્રિકેટ એકેડમી તો દૂરની વાત છે, તેઓ ખૂબ જ મુશ્કેલીથી તેની સ્કૂલની ફી ભેગી કરી શક્યા હતા. અર્ચના કોઈક રીતે કસ્તુરબા ગાંધી સ્કૂલમાં ભણવામાં સફળ રહી. અહીંથી જ તેની રમતગમતમાં રસ વધ્યો. ત્યારપછી શાળાના શિક્ષકે તેની રમત પ્રત્યેની રુચિ જોઈને તેને કાનપુરની ક્રિકેટ એકેડમીમાં મોકલવાનું નક્કી કર્યું. ભારતીય સ્પિનર કુલદીપ યાદવે પણ મદદ કરી હતી અર્ચનાની શિક્ષિકા પૂનમ ગુપ્તાએ તેને કાનપુરની એકેડમીમાં ન માત્ર એડમિશન અપાવ્યું પરંતુ તેને ક્રિકેટ કીટ પણ અપાવી. એકેડમીમાં અર્ચનાની ફી માફ કરવામાં આવી હતી. આ એકેડમીના કોચ કપિલે તેની ક્ષમતા અને કાબેલિયતમાં સુધારો કર્યો અને વધુ સારી ખેલાડી બનાવી, જે કોચ ભારતીય સ્પિનર કુલદીપ યાદવના કોચ પણ રહી ચૂક્યા છે. અહેવાલ અનુસાર, અર્ચના કહે છે કે તે કપિલ સરની એકેડમીમાં ટ્રેનિંગ દરમિયાન કુલદીપ યાદવને ઘણી વખત મળી હતી. તેમની પાસેથી ઘણું શીખ્યા. કુલદીપે અર્ચનાને તેની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાની અને તેની બોલિંગમાં વિવિધતા લાવવાની સલાહ આપી. ભારતનું પ્રતિનિધિત્વ કરતી વખતે અર્ચના પણ પોતાની ક્ષમતાઓ બતાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેશે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.